મને ખરેખર ગર્વ છે, કારણ કે ગઈકાલે અમે એમ્સ્ટરડેમમાં ડોનર્સ સ્ટિચિંગ માટે એક ટેબલ સ્થાપિત કર્યું હતું અને આ ક્ષણે અમારી રાણી મેક્સિમા આ ટેબલ પર પોતાનો ફોન ચાર્જ કરી રહી છે. તે ખરેખર સરસ છે. તેથી, તમારી પાસે જેટલી વધુ સપાટી હશે, તેટલી વધુ સૌર ઊર્જા તમે મેળવી શકશો. આ અમારી વર્તમાન વિંડોઝ છે, જ્યાં અમે લંડનની સોહો ગેલેરીની તમામ વિંડોઝને સ્ટેઇન્ડ ગ્લાસના આ આધુનિક સંસ્કરણથી બદલી હતી. તેથી શેરીમાંથી આવતા લોકો વિંડો પાસે આવીને પોતાનો ફોન ચાર્જ કરી શકતા હતા. તેથી હું વિંડોઝને વધારાનાં કાર્યો આપી રહી છું. વિંડો હવે માત્ર વિંડો હોવી જરૂરી નથી. તે નાના પાવર સ્ટેશન તરીકે પણ કામ કરી શકે છે. હું અહીં ઊભી રહીને સૌર ઊર્જા મને કેટલી ગમે છે તે વિશે વાત કરી રહી છું, પરંતુ મારા પોતાના ઘરની છત પર સોલાર પેનલ્સ નથી. હું એમ્સ્ટરડેમના મધ્યમાં રહું છું, મારી પાસે પોતાનું ઘર નથી અને હું જ્યાં રહું છું તે ઇમારત એક સ્મારક છે, તેથી ત્યાં સોલાર પેનલ્સ લગાવવી શક્ય કે મંજૂર નથી. તો પછી આપણે સોલાર સેલ્સને વધુ સુલભ અને દરેક વ્યક્તિ માટે ઉપલબ્ધ કેવી રીતે બનાવી શકીએ, માત્ર એવા લોકો માટે નહીં જેઓ ટકાઉ જીવનશૈલી પરવડી શકે? હવે આપણી પાસે એવી જગ્યાઓ પર સૌર ઊર્જાને એકીકૃત કરવાની તક છે, જ્યાં તેની સીધી જરૂર હોય છે. અને આ માટે ઘણી આશ્ચર્યજનક તકનીકો ઉપલબ્ધ છે. જો હું અત્યારે આસપાસ જોઉં, તો મને દરેક સપાટી એક તક તરીકે દેખાય છે. ઉદાહરણ તરીકે, હું નેધરલેન્ડ્સના વેસ્ટલેન્ડ વિસ્તારમાંથી ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી, જ્યાં ઘણાં ગ્રીનહાઉસ છે. મેં ત્યાં આ બધો કાચ જોયો અને વિચાર્યું: શું થાય જો આપણે તેમાં પારદર્શક સોલાર ગ્લાસને એકીકૃત કરીએ? જો આપણે પરંપરાગત ખેતી સાથે હાઇ-ટેક ટેક્નોલોજીને એકીકૃત કરીને બંનેને સાથે જોડીએ તો શું થાય? આ વિચારને ધ્યાનમાં રાખીને, મેં એક પાવર પ્લાન્ટ બનાવ્યો છે. મારી પાસે આર્કિટેક્ટ્સ અને ઇજનેરોની એક ટીમ હતી. પરંતુ પહેલા મને સમજાવવા દો કે તે કેવી રીતે કામ કરે છે. અમે પારદર્શક સોલાર ગ્લાસનો ઉપયોગ ગ્રીનહાઉસના આંતરિક વાતાવરણને વીજળી પૂરી પાડવા માટે કરીએ છીએ. અમે હાઇડ્રોપોનિક્સનો ઉપયોગ કરીએ છીએ, જેમાં પોષક તત્ત્વોથી ભરેલું પાણી છોડની આસપાસ પંપ કરવામાં આવે છે. તેનાથી પાણીના વપરાશમાં નેવું ટકા સુધીની બચત થાય છે. છોડને વિવિધ સ્તરોમાં ગોઠવીને, આપણે ચોરસ મીટર દીઠ વધુ ઉપજ મેળવી શકીએ છીએ. જેમ જેમ વધુને વધુ લોકો મોટા શહેરોમાં રહેવા લાગશે, તેમ છત પર પાવર પ્લાન્ટ અને ગ્રીનહાઉસ ઊભાં કરીને આપણે ખોરાક અને ઊર્જા માટે વિશ્વની બીજી બાજુથી વસ્તુઓ લાવવાની જરૂરિયાત ઘટાડી શકીએ છીએ. આપણે તેને જ્યાં જરૂર હોય ત્યાં જ ઉત્પન્ન કરી શકીએ છીએ. સારું, મોટું સ્વપ્ન એ છે કે આને એવા ઑફ-ગ્રીડ સ્થળોએ પણ બનાવવામાં આવે, જ્યાં કોઈ...